વર્ષભર મહેનત કરીને જીવન ચલાવતા ખેડૂતોની હાલત હાલ તેમના સિવાય કોઈ સમજે તેવું લાગી રહ્યું નથી. ખેતરમાં મગ, ચણા વગેરે વાવ્યા હતા જે બરબાદ થઈ ગયા છે. તરફ પોરબંદરના બરડા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ થઈ ગઈ હતી. કુણવદરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવા માહોલ વચ્ચેધોધમાર વરસાદ પડ્યો હતો. મગનો પાક તો જાણે કેટલાક ખેડૂતોનો સંપૂર્ણ નાશ પામ્યો હતો. તરફ પશુઓના ઘાસચારાને પણ નુકસાન થયું હતું. કુદરતના પ્રકોપ સામે જાણે ખેડૂત સદંતર લાચાર જોવા મળ્યો હતો. અચાનક બનેલીઘટનાએ અહીં કરુણ દ્રષ્યો સર્જ્યા હતા. બીજી બાજુ અરવલ્લીમાં મેઘરજના રામગઢી ગામે કરા પડ્યા હતા. કમોસમી વરસાદ વચ્ચે કરાના ટપોટપ વરસાદથી લોકો પણ કુતુહલ પામ્યા હતા. મેઘરજમાં વાવાઝોડાના કારણે હોર્ડિંગ પણ ધરાશાયી થઈ ગયા હતા. કચ્છમાં તો સતત કમોસમી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. માંડવી, ગઢશીશા, નખત્રાણા પંથકની તો હાલતબગાડી દીધી છે. નદી અને નાળાઓમાં પાણી સટાસટ વહેવા લાગ્યા છે. અહીં નખત્રાણા બજાર વચ્ચેનદી વહેતી હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. ભૂજ, નખત્રાણા, લખપતમાં પણ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણીઝડપે જતું હતું કે સહુ કોઈ ચોંકી ગયા હતા. જેના કારણે ઘણા વાહનો થોભી ગયા હતા. નખત્રાણા શહેરની અંદરથી નીકળતા કોઝવેમાં ભારે પાણી આવ્યું હતું. રસ્તા પર પાણી ફરી વળતા ભુજ, નખત્રાણા અને લખપતનો રાજ્ય ધોરીમાર્ગ અવરોધાયો હતો. રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ પડ્યો છે. ઉનાળા દરમિયાન જ્યાં તપતી ગરમીનો માહોલ હોય છે ત્યાં કમોસમી વરસાદની એક માત્ર બેટિંગમાંઉપલેટા પાણી પાણી થઈ ગયું હતું. અહીં સ્વામિનારાયણ સોસાયટીમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. વિસ્તારની અંદર અગાઉ પણ પાણી ભરાવાની બુમો પડતી રહી છે પણ સત્તાધિશોના કાન એમ કાંઈ સાંભળે? જોકે અહીં લોકો જાતેપોતાની મદદ કરવાનું નક્કી કરીને પોતાની અક્કલથી જે થાય તે કરી રહ્યા છે.